ઘર માટેની વાસ્તુ મુજબ, દાદર માટે યોગ્ય વાસ્તુ દક્ષિણ-પશ્ચિમ દિશામાં છે. તમે અન્ય દિશાઓ પણ ધ્યાનમાં લઈ શકો છોજો કે, તમારે તેના માટે વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. પરંતુ યાદ રાખો, તમારે દાદર મૂકવા માટે કોઈપણ કિંમતે ઉત્તરપૂર્વ ઝોનને ટાળવું જોઈએ. ઘર માટે વાસ્તુઃ દાદર માટે વાસ્તુ. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સલિવિંગ રૂમ માટે વાસ્તુ કોઈપણ ઘરમાં, વસવાટ કરો છો ખંડઘરનો સૌથી સક્રિય વિસ્તાર છે અને જ્યારે તેઓ પ્રવેશ કરે છે ત્યારે મહેમાનો પર પ્રથમ છાપ બનાવે છે. લિવિંગ રૂમ ક્લટર ફ્રી હોવો જોઈએ. તમારા નવા ઘરનો આગળનો અથવા લિવિંગ રૂમ પૂર્વ, ઉત્તર અથવા ઉત્તરપૂર્વ દિશામાં સ્થિત હોવો જોઈએ. ઉપરાંત, તે રૂમમાં ફર્નિચર પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ નથી તેની ખાતરી થશે. તેજસ્વી અને આધુનિક લિવિંગ રૂમ લિવિંગ રૂમ માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ટિપ્સ: તમામ ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉપકરણો લિવિંગ રૂમની દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવા જોઈએ. જો લિવિંગ રૂમમાં અરીસો હોય તો તેને ઉત્તરની દિવાલ પર લગાવવો જોઈએ. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ: બેડરૂમ વાસ્તુ સારા સ્વાસ્થ્ય માટે અને સમૃદ્ધ સંબંધો જાળવવા માટે, શયનખંડ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. ઈશાન દિશા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે, જ્યારે દક્ષિણ-પૂર્વ તરફનો બેડરૂમ યુગલો વચ્ચે ઝઘડા અને ઝઘડાનું કારણ બની શકે છે. ઉપરાંત, પલંગને રૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મુકવો જોઈએ, માથું પશ્ચિમ તરફ રાખવું જોઈએ. બેડરૂમ ડિઝાઇન કરતી વખતે અનુસરવા માટેની ટીપ્સ:બેડની સામે અરીસો કે ટેલિવિઝન ન હોવા જોઈએ. તેનું કારણછે કે જ્યારે પથારીમાં હોય ત્યારે પ્રતિબિંબ ન જોવું જોઈએ, કારણ કે તેનાથી ઘરેલું વિક્ષેપો અને ઝઘડા થાય છે. બેડરૂમની દિવાલોને તટસ્થ અથવા માટીના ટોનમાં રંગની રંગવી જોઈએ, કારણ કે તે સકારાત્મક ઉર્જા ફેલાવે છે. દિવાલો કાળી હોવી જોઈએ. બેડરૂમમાં મંદિર ન હોવું જોઈએ. બેડરૂમમાં પાણી અથવા ફુવારાઓ દર્શાવતી પેઇન્ટિંગ્સ હોવી જોઈએ નહીં, કારણ કે તે ભાવનાત્મક વિસ્ફોટનું કારણ બની શકે છે. મૂડ લાઇટિંગનો ઉપયોગ કરવો જોઈએ, અને શાંત ઓએસિસ બનાવવા માટે સુગંધિત તેલ વાપરી શકાય છે. આધુનિક આંતરિક સાથે બેડરૂમનવા ઘર માટે વાસ્તુ ટિપ્સરસોડા માટે વાસ્તુ સરલ વાસ્તુ અનુસાર રસોડું ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. રસોડું બનાવતી વખતે ઘરની ઉત્તર, ઈશાન કે દક્ષિણ-પશ્ચિમ દિશા ટાળવી જોઈએ. રસોડામાં ઉપકરણો પણ દક્ષિણ-પૂર્વ દિશામાં હોવા જોઈએ. રસોડું અને અંદરના સાધનોનો સામનો યોગ્ય દિશામાં હોવો જોઈએબાળકોના રૂમ માટે વાસ્તુ ટિપ્સ વાસ્તુ અનુસાર બાળકોના રૂમની ડિઝાઈન નવા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. બાળકોએ દક્ષિણ અથવા પૂર્વ તરફ માથું રાખીને સૂવું જોઈએ, કારણ કેસારા નસીબ અને માનસિક શાંતિની ખાતરી આપે છે. ધ્યાન રૂમ માટે વાસ્તુ